તમારે તમારા બેડરૂમની સજાવટ સાથે અસાધારણ જવાની જરૂર નથી. વક્ર ફોલ્સ સિલિંગ પીઓપી ડિઝાઇનનું ઇન્સ્ટોલેશન આંતરિક ભાગમાં અજાયબીઓનું કામ કરશે. વળાંકોની સુંદરતા વધારવા અને ગ્લેમ અને ચળકતી ફ્લેર ઉમેરવા માટે છત પર વળાંકો સાથે લાઇટિંગ ઇન્સ્ટોલ કરો. ઉપરાંત, રૂમમાં વધુ તેજ અને રોશની માટે તમે છતની બંને બાજુએ લટકતા લેમ્પ્સ ઇન્સ્ટોલ કરી શકો છો. સૂક્ષ્મ અને અનન્ય પીઓપી ડિઝાઇન ખૂબ વાઇબ્રન્સ અથવા કલર પ્લે માંગતી નથી. તટસ્થ ટોનમાં ફેંકો અને જુઓ કે તમારું બૌડોઇર હવેલી જેવું લાગે છે. દિવાલ પરની જટિલ પીઓપી ડિઝાઇન સાથે જોડાયેલી છતની ડિઝાઇન ભવ્ય સેટિંગ માટે પૂરક પીઓપી ડિઝાઇન સાથે છત અને ટીવીની દિવાલને સ્ટાઇલ કરો. છતની કિનારીઓને લેયર કરતી સરળ પીઓપી ડિઝાઇન છત પર અમુક પેટર્ન સાથે ડ્રામાનો ડોઝ ઉમેરે છે અને સરંજામમાં તટસ્થ રંગોને પૂરક બનાવે છે. છતની સુંદરતામાં એક મહાન અપગ્રેડ, ટીવી યુનિટની ડિઝાઇન સાથે જોડાયેલી જટિલ પીઓપી ડિઝાઇન લિવિંગ રૂમને ક્લાસિક ફ્લેર સેટિંગ આપે છે. સરળ અને સૂક્ષ્મ આંતરિક વલણોનો સાર છે, અને આકર્ષક પીઓપી ડિઝાઇન્સ સાથેનો લિવિંગ રૂમ ન્યૂનતમવાદનું ઉત્તમ ઉદાહરણ છે. વિક્ટોરિયન આર્કિટેક્ચર-પ્રેરિત પીઓપી છતની ડિઝાઇન વર્ષોથી વિકસિત થઈ છે અને બજારમાં આકર્ષક ડિઝાઇન શૈલીઓ ઉપલબ્ધ છે. જો કે, એક છત ડિઝાઇન જે હજુ પણ શૈલીમાં છે તે વિક્ટોરિયન આર્કિટેક્ચર છત ડિઝાઇન છે. ડિઝાઇન લાવણ્ય અને આધુનિકતાનું સંપૂર્ણ મિશ્રણ છે. તે તેની ભારે અને વિગતવાર ડિઝાઇન માટે જાણીતું છે, જે તેને સૌથી આકર્ષક છત ડિઝાઇનમાંની એક બનાવે છે. તેથી જો તમે તમારા ઘર માટે કેટલીક ભવ્ય છતની ડિઝાઇન શોધી રહ્યા છો, તો વિક્ટોરિયન શૈલીની પીઓપી ડિઝાઇન તમારા માટે યોગ્ય પસંદગી છે. છત માટે ખૂબસૂરત વિક્ટોરિયન શૈલીની પીઓપી ડિઝાઇન અજમાવી જુઓ. આ છત માટેની કેટલીક મહાન પીઓપી ડિઝાઇન હતી. પરંતુ જો તમે નવીનીકરણનું આયોજન કરી રહ્યા છો અથવા નવી જગ્યા ડિઝાઇન કરી રહ્યા છો, તો વાસ્તુના પાસાને જોવું અને જગ્યા વાસ્તુશાસ્ત્રને અનુરૂપ છે તેની ખાતરી કરવી પણ જરૂરી છે. આંતરિક છતની ડિઝાઇન માટે કેટલીક વાસ્તુ ટીપ્સ અહીં છે. વાસ્તુ અનુસાર અસમાન ડિઝાઇનની તુલનામાં છત માટે ફ્લેટ પીઓપી ડિઝાઇન સારી માનવામાં આવે છે. જો તમે તમારી આંતરિક છતની ડિઝાઇનમાં સ્કાઇલાઇટ વિન્ડો પસંદ કરો છો, તો ખાતરી કરો કે તે ઉત્તર અથવા પૂર્વ બાજુએ છે. છત માટે તમારી પીઓપી ડિઝાઇનમાં કોઈપણ ચિપ્સ અથવા તિરાડો તરત સુધારવી જોઈએ, કારણ કે તૂટેલી વસ્તુઓને શુભ માનવામાં આવે છે. રસોડામાં આંતરિક છતની ડિઝાઇન માટે, દક્ષિણ અથવા પશ્ચિમ ભાગમાં ચીમની માટે જગ્યા બનાવો. કોઈપણ કિંમતે પૂર્વ દિશા ટાળો. છત માટે પીઓપી ડિઝાઇનમાં ઘાટા રંગો ટાળવા જોઈએ, તેના બદલે, સફેદ